નાનપણમાં જ્યારે બહાર ભણવા કે નોકરી કરવા ગયેલા ભાઈ કે બહેન વિશે સમાચાર આવતા, ત્યારે ઘરના વડીલો હળવાશથી ટકોર કરતા, “પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી.” ત્યારે આખી વાતનો સંદર્ભ સમજાતો નહોતો. દાદી પાસેથી વાર્તા સાંભળતી વખતે વચ્ચે આવતા જોડકણાં ગોખાઈ જતા અને તેમની સાથે જોરજોરથી લલકારતા. એ યાદી મનમાં એટલી ઊંડી કોતરાયેલી છે કે જ્યારે પણ તેને યાદ કરીએ, ત્યારે તરત જ જાણે એ સમયમાં જીવતા હોઈએ એવો ઉલ્લાસ અને પ્રસન્નતા મનમાં છવાઈ જાય. આપના બાળકોને પણ આવી સોનેરી યાદગીરી આપવા માટે આ વાર્તા જરૂરથી કહી સંભળાવશો. એક નાનકડું ગામ હતું. ગામના પાદરે ઘણાં નાનાં-મોટાં ઝાડ હતાં. આ ઝાડ પર અનેક પક્ષીઓ માળા બાંધીને રહેતા. પંખીડાં સાથે મળીને સવાર-સાંજ બસ કલબલાટ અને મોજ કરતા. આમાં એક મોટા આમલીના ઝાડ એટલે કે રૂખડાના વૃક્ષની બખોલમાં એક પોપટનો પરિવાર માળો બાંધીને રહેતો. આવી બખોલને બીજું શું કહેવાય એ ખબર છે? તેને “કોટર” કહેવાય. હવે યાદ રાખજો હોં ને! કોટરમાં રહેતો પોપટ ખૂબ વાતોડિયો હતો. આખો દિવસ કંઈક ને કંઈક બોલ્યા કરે. પાછો સ્વભાવે આનંદી, એટલે બધા તેને ઓળખે પણ ખરા. આખો દિવસ અલક-મલકની વાતો કરીને પસાર કરે. એક દિવસ પોપટની મા બોલી, “ભાઈ, આખો દિવસ વાતો જ કર્યા કરે તો? ઝાઝી વાતોનાં ગાડાં ભરાય તેના કરતાં કંઈક કમાવા જા ને!” પોપટને થયું કે મા તો સાચું જ કહે છે. એટલે એ તો કમાવા નીકળી પડ્યો. ચાલતાં-ચાલતાં તે ઘણો દૂર આવી ગયો. હવે તેને થોડો થાક પણ લાગ્યો હતો. આજુબાજુમાં જોયું તો એક મોટું, સરસ મજાનું સરોવર હતું. સરોવરના કિનારે ઘણાં સુંદર વૃક્ષો હતાં, જેમાં એક મોટો આંબો પણ હતો. પોપટ તો આંબાની ડાળે લૂમેઝૂમે લટકતી કાચી-પાકી કેરીઓ જોઈને ગેલમાં આવી ગયો. એક ડાળથી બીજી ડાળ કૂદી-કૂદીને પોપટભાઈએ ભરપેટ કેરીઓની જયાફત ઉડાવી. આંબો તો જાણે પોપટનું નવું ઘર બની ગયો. પોપટ રોજ મીઠી કેરીઓ ખાય, સરોવરનું ઠંડું પાણી પીવે, આંબાની ડાળે હિંચકે અને ટહુકા કરે. આમ કરતાં ઘણાં દિવસો પસાર થઈ ગયા. એક દિવસ આંબાની નીચેથી એક ગોવાળ પોતાનું ધણ લઈને પસાર થયો. વાત કરતાં ખબર પડી કે આ ગોવાળ તો પોપટના ગામ તરફ જઈ રહ્યો હતો. પોપટે ગોવાળને કહ્યું, “ભાઈ ગાયોના ગોવાળ! મારી મા ને આટલું કહેજે ને કે, ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ. પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહૂકા કરે!’” ગોવાળ કહે, “ના રે ભાઈ, હું આ...